એકવાર બે માણસો એક મંદિર પાસે બેસીને ગપ્પાં મારતા હતા. ત્યાં અંધારું થયું અને વાદળો મંડરાતા ગયા. થોડી વાર પછી એક માણસ ત્યાં આવ્યો અને તે પણ બંને સાથે બેસી ગયો અને ગપસપ કરવા લાગ્યો. એકાદ કલાક બાદ તે અજાણ્યા માણસે કહ્યું કે તેને ખૂબ ભૂખ લાગી છે, પેલા બંનેને પણ ભૂખ લાગી હતી. પહેલા માણસે કહ્યું, મારી પાસે ત્રણ રોટલી છે, બીજાએ કહ્યું, મારી પાસે પાંચ રોટલી છે, આપણે ત્રણેય તેને સરખા ભાગે વહેંચીને ખાઈશું. તે પછી પ્રશ્ન આવ્યો કે આપણે ત્રણ લોકો વચ્ચે આઠ રોટલી કેવી રીતે વહેંચી શકીશું? પ્રથમ વ્યક્તિએ સલાહ આપી કે ચાલો દરેક રોટલીના ત્રણ-ત્રણ ટુકડાઓ કરીએ એટલે કે, આઠ રોટલીને ચોવીસ ટુકડાઓમાં વહેંચવામાં આવશે અને દરેકને આઠ ટુકડાઓ આપણા ત્રણેયમાં સમાનરૂપે વહેંચવામાં આવશે. ત્રણેયને તેનો વિચાર ગમ્યો અને રોટલીના આઠ ટુકડા કરીને ચોવીસ ટુકડા કર્યા પછી, તેઓએ આઠ – આઠ ટુકડા ખાઈને ભૂખ સંતોષી અને પછી વરસાદને કારણે મંદિરના પ્રાંગણમાં સૂઈ ગયા. સવારે ઉઠીને, ત્રીજા માણસે બંનેની દયા બદલ આભાર માન્યો અને પ્રેમથી તેમને આઠ બ્રેડના ટુકડાના બદલામાં આઠ સોનાની ગીની ભેટ આપી અને પોતાના ઘર તરફ ગયો. તેના ગયા પછી, બીજા માણસે પહેલા માણસને કહ્યું, ચાલો આપણે બંને ચાર-ચાર ગિનીઓ વહેંચી લઈએ. પહેલા માણસે કહ્યું ના, મારી પાસે ત્રણ રોટલી હતી અને તમારી પાસે પાંચ રોટલી હતી, તો હું ત્રણ ગીની લઈશ, અને તમારે પાંચ ગીની રાખવા પડશે. આ બાબતે બંને વચ્ચે મીઠી રકઝક શરૂ થઈ પણ કોઈ નિર્ણય ન આવ્યો. આ પછી બંને મંદિરના પૂજારી પાસે ગયા અને તેમને સમસ્યા જણાવી અને ઉકેલ માટે પ્રાર્થના કરી. પૂજારી પણ મૂંઝવણમાં પડ્યા, બંને એકબીજાને વધુ આપવા માટે લડી રહ્યા છે. પૂજારીએ કહ્યું, તમે લોકો આ આઠ ગીનીઓને મારી પાસે છોડી દો અને મને વિચારવાનો સમય આપો, હું કાલે સવારે ઉકેલ આપીશ. રાત્રે પૂજારી ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. થોડા સમય પછી, ભગવાન તેના સ્વપ્નમાં દેખાયા અને પૂજારીએ તેને આ બધું કહ્યું અને ન્યાયિક માર્ગદર્શન માટે પ્રાર્થના કરી અને કહ્યું કે મારા મતે તો બંને ને ત્રણ-પાંચ ભાગ યોગ્ય લાગે છે. ભગવાન હસ્યા અને બોલ્યા – ના, પહેલા માણસને એક ગિની અને બીજા માણસને સાત ગિની મળવા જોઈએ. ભગવાનના આ શબ્દો સાંભળીને પૂજારી આશ્ચર્યચકિત થઈ ગયા અને આશ્ચર્યમાં પૂછ્યું – એમાં કોઈ શંકા નથી કે પહેલા માણસે તેની ત્રણ રોટલીના નવ ટુકડા કર્યા પરંતુ તે નવ માંથી તેણે માત્ર એક ભાગ પાડ્યો અને આઠ ટુકડા તો પોતે જ ખાધા છે એટલે.